કરી રહ્યાં હોય તો તે પણ અપરાધ છે. રમઝાનમાં સવારે સહેરીનો આદેશ છે અને સાંજે ઈફ્તાર પણ જરૂરી છે. સેહરી ફરજની નમાઝ પહેલા અને ઈફ્તાર મગરિબની નમાઝ બાદ કરવામાં આવે છે. બંને સમયે યોગ્ય માત્રામાં ખાવાનો હુક્મ મળે છે કેમકે રોઝા ઈબાદતની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ જરૂરી છે. રોઝામાં રોઝાદારની આત્માની સાથે સાથે તેના શરીરની પણ બધી જ બિમારીઓ પવિત્ર થઈ જાય છે. પ્રતિષ્ઠા અને અધિકારોની દૃષ્ટિએ સર્વ માનવો જન્મથી સ્વતંત્ર અને સમાન હોય છે. તેમના માં વિચારશક્તિ અને અંતઃકરણ હોય છે અને તેમણે પરસ્પર બંધુત્વની ભાવનાથી વર્તવું જો ઈએ. પ્રાણાયમ એ શ્વાસનું નિયંત્રણ અને વિસ્તરણ છે. તેની પ્રેક્ટિસ કરીને, આપણે આપણા શ્વાસનો દર ઘટાડી શકીએ છીએ. ઘટાડેલા શ્વાસનો દર ઘણાં ફાયદાઓ ધરાવે છે. તે હાર્ટ રેટને ધીમું કરે છે, બ્લડ પ્રેશર ઘટાડે છે અને શરીર અને મનને રિલેક્સ કરે છે. પ્રાણાયામથી આપણી આયુષ્ય વધે છે. પ્રાણાયમ ખાલી પેટ પર કરવું જોઈએ, પ્રાધાન્ય સવારે. તમે સાંજે પણ કરી શકો છો પરંતુ છેલ્લે જમ્યા પછી ચાર કલાકનો અંતર હોવો જોઈએ. પક્ષીઓ હંમેશાં બાળકોને આકર્ષિત કરે છે. તેઓ વિવિધ પ્રકારો, રંગ અને સ્વભાવના છે. અમારી પાસે સૌથી નાનો પક્ષી-હમિંગ પક્ષી છે અને સૌથી મોટો એક શાહમૃગ છે. આપણો રાષ્ટ્રીય પક્ષી મોર પણ એક મોટો, સુંદર પક્ષી છે. પક્ષીઓ વિવિધ રંગોના હોય છે કારણ કે સ્પેરો ગ્રે, સફેદ અને કાળા હોય છે; પોપટ-હળવા લીલો, ગડબડ; કબૂતર-પ્રકાશ રાખોડી, સફેદ વગેરે કબૂતર, ચારો, પોપટ વગેરે શાંત સ્વભાવના હોય છે. હોક, ગરુડ, પતંગ, ગીધ, કાગડો વગેરે શિકારી છે. આરતી એ મનુની શ્રેષ્ઠ મિત્ર છે. તે સાંજે મનુની બર્થડે પાર્ટીમાં જવા તૈયાર થઈ ગઈ છે. તેણે મનુ માટે જન્મદિવસની ભેટ તરીકે વાર્તાઓનું મોટું પુસ્તક ખરીદ્યું. આરતી તેને લાલ રંગના કાગળમાં લપેટવા માંગે છે. તે જાણે છે કે લાલ મનુનો પ્રિય રંગ છે. તેણીને કોઈ લાલ કાગળ નથી મળી. આરતી ઉદાસી છે. આરતીનો દુ:ખી ચહેરો જોતાં તેની માતાએ તેને ભેટને તેના લાલ સ્કાર્ફમાં લપેટવાનું કહ્યું! આરતી આનંદિત થઈ. રોમી આજે ખૂબ ખુશ છે. તેની ઉનાળુ વેકેશન શરૂ થઈ ગયું છે. પપ્પા તેને પહેલા ઝૂ અને પછી મનોરંજન પાર્કમાં લઈ જતા હતા. તેણે તેની પિકનિક બેગ તેના મનપસંદ ફ્રિસ્બી અને ટેડીથી ભરેલી છે. તે તેની માતાને કહે છે કે તેને દરેક ચોકચિપ કૂકીઝ અને વેફરનું પેકેટ આપો. ત્યારે જ પપ્પા રોમીને બોલાવે છે, આ સમય જવાનો છે! રોમી સીડીથી નીચે દોડે છે અને સખત લપસી જાય છે. તેને ઈજા થઈ છે, પરંતુ તે હસીને ખુશીથી કારમાં બેસે છે. રિયા પાસે નવી સાયકલ છે. તે તેજસ્વી ગુલાબી અને ચળકતી છે. તે તેના કાકાની ભેટ હતી. તેણે તેને આશ્ચર્યચકિત કરવા તે ઝાડવું પાછળ છુપાવી દીધું. જ્યારે રિયાએ ઝાડની પાછળ જોયું અને સાયકલ જોઇ ત્યારે તે આનંદથી કૂદી પડી. તેણે કાકાને મોટો આલિંગન આપ્યો. તેણીને નવી સાયકલ પસંદ છે અને તે તેના કાકાને પ્રેમ કરે છે.